મોરબી ચાણક્ય કિડસ સ્કૂલના પ્રિન્સિપાલ દિવ્યા મેમ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવે છે કે આજે મોરબીમાં પ્રિ સ્કૂલ તો ઘણી છે પરંતુબધાથી કઈક અલગપ્રકારથી બાળકને બેઝિક એજ્યુકેશન આપવા ચાણક્ય કિડ્સ સ્કૂલમાં પ્રત્યેક કલાસરૂમમાં ફક્ત બાળકોની સંખ્યા મર્યાદિત રાખી દરેક બાળકો માટે એક શિક્ષક અનેપણ સંપૂર્ણ પણે તાલીમ પામેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ચાણક્ય કિડ્સ સ્કૂલમાં સંપૂર્ણ હાઈજીનીક વાતાવરણમાં બાળકો માટે થીમ આધારિત કલાસરૂમ, વિશાળ પ્લે એરિયા, ગેમ ઝોન, જ્ઞાન સાથે ગમ્મત આપતા સાધનો અને કેમ્પસને સીસીટીવી કેમેરાની સુરક્ષા ઉપરાંત બાળક એકેડમીમાં એન્ટર થાય ત્યાંખાસ ચિપ વાળા આઈકાર્ડ થકી વાલીઓને પોતાના બાળકની સંપૂર્ણપણે જાણકારી મળે તેવી આધુનિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આમ, એજ્યુકેશન હબ મોરબીમાં હવે બાળકોને પ્રિસ્કૂલની પસંદગી માટે વાલીઓની ચિંતા હળવી થઈ છે કારણ કે ગુજરાતની સુપ્રસિદ્ધ ચાણક્ય કીડસ્ પ્રિ સ્કૂલ ટોડલરથી લઈ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી માટે સજ્જ થઈને આવ્યું છે અને આગામી એપ્રિલ માસથી શૈક્ષણિક સત્ર શરૂ કરી રહ્યું છે તો આજેરૂબરૂ મુલાકાત લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિનો વારસો સાચવવા નિમિત્ત બનો.